અનગ્લાઝ્ડ કપ અનન્ય ડિઝાઇન ધરાવે છે અને તેમની કુદરતી અને માટીની રચનાના કારણે આંખને આકર્ષે છે. માટીના ચા સેટ કપ. એન્ટિક ટી કપ. પ્રાચીન ચાના કપ યુગોથી આસપાસ છે અને વિવિધ સ્વરૂપો અને ડિઝાઇનમાં આવે છે. કેટલાક એન્ટિક ચાના કપ સોના, ચાંદી અથવા બોન ચાઈનાથી બનેલા હોવાથી તે ખૂબ મોંઘા હોય છે. એન્ટિક ચા સેટ કપ. જાપાનીઝ ટી કપ. જાપાનીઝ ચાના સેટ તેમની વાલ લાવણ્ય, સુંદરતા અને સાદગી માટે પસંદ કરવામાં આવે છે. તમે કપને ગામઠી માટીના વાસણોથી લઈને પોર્સેલીન કપ સુધીના વિવિધ સ્વરૂપોમાં સરળતાથી શોધી શકો છો. કેટલાક જાપાનીઝ ચાના કપમાં ચેરી બ્લોસમ અથવા તરંગો જેવી પરંપરાગત થીમ હોય છે, જે તમારા સંગ્રહમાં સાંસ્કૃતિક સ્વાદ ઉમેરે છે. જાપાનીઝ ચા સેટ કપ. ફ્લોરલ ટી કપ. ફ્લોરલ ટી સેટ કપમાં નાજુક ફૂલોની પેટર્ન છે જે તમારા સેટને સ્ત્રીની અને ભવ્ય સ્પર્શ પ્રદાન કરે છે. તેઓ રંગો અને પેટર્નની શ્રેણીમાં આવે છે, જે તેમને કોઈપણ પ્રસંગ માટે યોગ્ય બનાવે છે. ફ્લોરલ ટી સેટ કપ. ગિલ્ડેડ ટી કપ. ગિલ્ડેડ ટી સેટના કપ સોના અથવા ચાંદીના પાનથી શણગારવામાં આવે છે. તે તમારા ટી સેટ સંગ્રહમાં વર્ગ, શૈલી અને લાવણ્યનો ટુકડો ઉમેરવા માટે યોગ્ય છે. ગિલ્ડેડ ચા સેટ કપ. પશુ-થીમ આધારિત કપ. પ્રાણીઓની થીમ આધારિત ચાના કપ પ્રાણીઓની છબીઓથી શણગારવામાં આવે છે, જેમાં સુંદર અને તરંગથી લઈને વાસ્તવિક અને વિગતવાર ડિઝાઇનનો સમાવેશ થાય છે. અને કાર્ટૂનિશ ચિત્રોથી માંડીને જટિલ ચિત્રો સુધી વિવિધ શૈલીનો શૈલીઓ અને ડિઝાઇનમાં આવે છે. પ્રાણી-થીમ આધારિત ચાના કપ ચા પ્રેમીઓ માટે યોગ્ય છે અને સર્જનાત્મકતા અને આનંદથી પ્રશંસા કરે છે. પશુ-થીમ આધારિત ચા સેટ કપ. મોરોક્કન ટી ચશ્મા. મોરોક્કન ચાના કપ અથવા ચશ્મા કુશળ કારીગરો દ્વારા હસ્તકલા બનાવવામાં આવે છે અને ઘણીવાર જટિલ પેટર્ન અને વાઇબ્રન્ટ રંગોથી શણગારવામાં આવે છે. મોરોક્કન ચાના કપ તેમની નાની અને સાંકડી ડિઝાઇન માટે જાણીતા છે, જે ચાને લાંબા સમય સુધી ગરમ રાખવામાં મદદ કરે છે. વારસા અને વિશિષ્ટતાનો સ્પર્શ ઉમેરવા માટે તમારા સંગ્રહમાં ચાના ચશ્માનો ઉપયોગ કરવામાં પ્રયાસ કરો. મોરોક્કન ચા સેટ કપ અથવા ચશ્મા. સિલ્વર ટી કપ. સિલ્વર ટી સેટ કપ કોઈપણ સેટમાં ભવ્ય અને કાલાતીત ઉમેરો છે. કપ ઘણીવાર જટિલ ડિઝાઇનમાં અથવા પેટર્ન સાથે કોતરવામાં આવે છે, જે વૈભવી અને અભિજાત્યપણુ ઉમેરે છે. ચાંદીના કપ પણ ગરમી જાળવી રાખે છે, જે તેમને ગરમ ચા પીરસવા માટે ઉત્તમ પસંદગી બનાવે છે. સિલ્વર કપની સરળ અને ચમકદાર રચના આધુનિક અને આકર્ષક વાતાવરણ બનાવે છે, જે સમકાલીન સેટ માટે યોગ્ય છે. સિલ્વર ટી સેટ કપ. વિન્ટેજ ટી કપ. વિન્ટેજ ચાના કપમાં વશીકરણ અને જૂના જમાનાની સુંદરતા હોય છે.